ફોલ્ડિંગ ડોર્સ. નામ સૂચવે છે તેમ, ફોલ્ડિંગ દરવાજા ફોલ્ડ કરવામાં સક્ષમ છે. આનું કારણછે કે દરવાજા જેવું માળખું બનાવવા માટે અલગ-અલગ પેનલો હીંજીસ સાથે મળીને આવે છે. દરવાજાની ડિઝાઇન કપબોર્ડ, લોન્ડ્રી રૂમ અને વધુ માટે ઉત્તમ છે. પેનલ દરવાજા ડિઝાઇનમાં સામાન્ય હોવા છતાં,દરવાજા તેમના માટે ચોક્કસ આકર્ષણ ધરાવે છે. તેઓ માત્ર મજબૂત અને ટકાઉ, નથી, તે તમારા ઘરને સારો દેખાવ પણ બનાવે છે. તમે સિંગલ પેનલ, ડબલ પેનલ અથવા અન્ય પેનલ વિકલ્પો વચ્ચે પસંદગી કરી શકો છો. ફ્લશ ડોર ડિઝાઇનનો સારાંશ. જ્યારે તમે તમારા ઘરના દેખાવ અને બાહ્ય દેખાવને વ્યાખ્યાયિત કરો છો ત્યારે દરવાજા એક મહત્વપૂર્ણ દેખાવ ભજવે છે. વિનિયર સાથે ફ્લશ ડોર ડિઝાઇન ખૂબ સરસ હોઈ શકે છે, કારણ કે તે તમારા ઘરને માત્ર અદભૂત દેખાવ આપતા નથી, પરંતુ વિવિધ પ્રકારના હવામાન માટે પણ ખૂબ પ્રતિરોધક હોય છે અને તેથી તે ટકાઉ અને લાંબા સમય સુધી રહે છે. ઉપરના બ્લોગમાં, અમે તમારી સાથે અનન્ય ફ્લશ ડોર ડિઝાઇન શેર કરી છે. તમને આમાંથી કઈ ડિઝાઇન સૌથી વધુ પસંદ આવી? અથવા તમે આમાંથી કઈ ડિઝાઇનને તમારા ઘરનો ભાગ બનવા માંગો છો? અમને નીચે ટિપ્પણીઓ વિભાગમાં જણાવો. દરવાજા પર વધુ. સ્ટીલના દરવાજા માટે ડોર હેન્ડલ્સ. મુખ્ય દરવાજાની વાસ્તુ માટે ટિપ્સ. સિંગલ ડોર એન્ટ્રી સાથે ઘર માટે મુખ્ય દરવાજાની ડિઝાઇન. ગણેશ સાથે મુખ્ય દરવાજાની ડિઝાઇન. બેડરૂમ દરવાજા ડિઝાઇન વિચારો, દરવાજાની ફ્રેમ માટે અનન્ય રંગ વિચારો, લેમિનેટેડ ફ્લશ ડોર ડિઝાઇન આઇડિયા. સાગ લાકડાના દરવાજાની ડિઝાઇન મુખ્ય દરવાજા માટે ડબલ ડોર ગ્રીલ ગેટની ડિઝાઇન. તમારા નાના એપાર્ટમેન્ટ માટે સ્લાઇડિંગ ડોર હેન્ડલ્સ. શહેરી અને આધુનિક એપાર્ટમેન્ટ માટે પ્રાચીન દરવાજા. કોમર્શિયલ જગ્યા માટે ડોર નોબ્સ .જીત માટે રેસ્ટોરન્ટ માટે વાસ્તુ ટિપ્સ . શું તમે કોઈ એવી વ્યક્તિ છો, જે રેસ્ટોરન્ટ ખોલવા માંગે છે? જો તમારો જવાબ હા છે, તો તમે યોગ્ય સ્થાન પર છો. જો તમે તમારા કેફે માટે નવી ઇમારત બનાવી રહ્યા હોવ, અથવા ભાડાની ઇમારતમાં જગ્યા બનાવી રહ્યા હોવ, તો વાંધો નથી. તમારા વ્યવસાયની સમૃદ્ધિ માટે રેસ્ટોરન્ટ માર્ગદર્શિકા માટે વાસ્તુનું પાલન કરવું મહત્વપૂર્ણ છે. પ્રવેશદ્વાર, રસોડું, બેસવાની જગ્યાથી માંડીને કેશ કાઉન્ટરની પ્લેસમેન્ટ અને યોગ્ય વાસ્તુ છોડ મેળવવા સુધી રેસ્ટોરન્ટ માટેની વાસ્તુમાં તમામ પ્રકારની ટિપ્સ છે, જે તમારા વ્યવસાય માટે સારી રહેશે. જીત માટે રેસ્ટોરન્ટ ટિપ્સ માટે વાસ્તુ નીચેના બ્લોગમાં, અમે તમારી સાથે રેસ્ટોરન્ટ ટિપ્સ માટે આવા વાસ્તુ શેર કરીએ છીએ જે તમને વધુ ગ્રાહકોને આકર્ષવામાં, તમારી સ્પેસમાં સકારાત્મકતા લાવવા અને તે સમયે તમારા વ્યવસાયમાં સારા નસીબ લાવવામાં મદદ કરશે. વધુ જાણવા માટે આગળ વાંચો. રેસ્ટોરન્ટના મુખ્ય પ્રવેશદ્વાર માટે વાસ્તુ